જો બાંધકામના કામ દરમિયાન કોઈ અજાણતા તેમને નુકસાન પહોંચાડી શકે તો, તેથી, અરજી. વિધિ પાંચ તત્વો એટલે કે જળ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને વાયુને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. ભૂમિ પૂજનભૂમિ પૂજન મુહૂર્તના દેવતાઓ ભૂમિ દેવી અથવા ભૂમિ દેવીપૃથ્વી માતા છે જેધાર્મિક વિધિમાં પૂજવામાં આવતી મુખ્ય દેવી છે. દેવતાની દૈવી ઉર્જા અને આશીર્વાદને આવકારવા માટે, ભૂમિ પૂજન વિધિ પછી બાંધકામમાં કોઈપણ અવરોધો દૂર કરવા માટે ભૂમિ પૂજન દરમિયાન ભૂમિ દેવીની પૂજા કરવામાં આવે છે. વાસ્તુ પુરૂષઆર્કિટેક્ચરલ સ્ટ્રક્ચર્સના દેવતા છે, અને દરેક નિર્માણક્ષમ જમીન 'વાસ્તુ પુરુષ મંડલા' છે. તે મકાનમાં રહેતા પરિવારના સભ્યોના જીવનમાં સુમેળ લાવવા માટે વાસ્તુ પુરૂષની પૂજા કરવામાં આવે છે, કારણ કે વાસ્તુ પુરૂષ મંડલા મૂળભૂત રીતે કોસ્મિક હિલચાલ મુજબ બિલ્ડિંગની આધ્યાત્મિક યોજનાનું પ્રતિનિધિત્વ છે. ભૂમિ પૂજન વાસ્તુ પુરુષ મંડળ ગૃહ પ્રવેશશ્રેષ્ઠ ગૃહ પ્રવેશ મુહૂર્ત તારીખો, ભૂમિ પૂજન વિધિમહત્વ અને તેના વિશે કેવી રીતે જવું, ભૂમિપૂજનના ફાયદા શું છે? આપણે બધા જાણીએ છીએ કે ભૂમિપૂજનવાસ્તુ પુરૂષ અને દેવી ભૂમિ ના સન્માનમાં કરવામાં આવતી એક વિધિ છે. પરંતુઅનુષ્ઠાન કરવાના વિવિધ ફાયદા પણ છે. આમાં શામેલ છેકોઈપણ માળખું બાંધતા પહેલા અથવા કૃષિ હેતુ માટે જમીનનો ઉપયોગ કરતા પહેલા, દેવી ભૂમિના આશીર્વાદ મેળવવા જરૂરી છે. પરિણામે, તમામ અનિષ્ટોને દૂર કરે છે અને જમીનની આસપાસની નકારાત્મકતાને ઘટાડે છે. ભૂમિપૂજન થોડા અથવા નવા આંચકો સાથે કાર્યક્ષમ બાંધકામ પૂર્ણ કરવામાં મદદ કરે છે. ભૂમિપૂજન કરવાથી મિલકત પર રહેતા લોકોની ખુશી અને સુખાકારી પણ સુનિશ્ચિત થાય છે. અને જો જમીન ખેતીની જમીન છે, તો તે વધુ ઉપજ સાથે વધુ પાક ઉગાડવામાં મદદ કરશે. ભૂમિપૂજન બાંધકામની જમીનને નકારાત્મકતાથી શુદ્ધ કરે છે અને ઘરને સંભવિત સમસ્યાઓથી સુરક્ષિત કરે છે. તે બધી નકારાત્મક શક્તિઓને દૂર કરે છે અને આખા ઘરની સુરક્ષા કરે છે. ભૂમિપૂજન કોણે કરવું જોઈએ? પરંપરા મુજબ, પરિવારના વડા અને તેમની પત્નીએ ભૂમિપૂજન કરવું જોઈએ. પૂજારીની હાજરીમાં અને યોગ્ય ભૂમિપૂજન વિધિ સાથે પૃથ્વી માતા માટેસન્માનની વિધિ કરવાની સલાહ આપવામાં આવે છે. પૂજારી તમને યોગ્ય ભૂમિ પૂજન મુહૂર્ત સાથે માર્ગદર્શન આપી શકે છે અને ગૃહ નિર્માણ પૂજાને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે. ભૂમિપૂજન કરતી વખતે શું સાવચેતી રાખવી? ભૂમિપૂજન કરતી વખતે, તમારે સાવચેત રહેવું જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે જ્યાં ધાર્મિક વિધિઓ કરવાની હોય તે જગ્યાને સાફ કરવાનીનહીં પરંતુ તમારી જમીનની સીમાને પણ સંપૂર્ણપણે સ્વચ્છ રાખવાની ખાતરી કરો. કોઈપણ કાંટાવાળા વૃક્ષો અને છોડને જમીનથી દૂર દૂર કરો. યાદ રાખો કે વૃક્ષો અથવા છોડ જીવંત નથીતેમને સંપૂર્ણપણે નાશ